પિલર ડેકોરેશન આઈડિયા હાઈ-એન્ડ રહેઠાણોમાં લોકપ્રિય છે. ડિઝાઇન વસાહતી શૈલીના કૉલમ્સમાંથી એકની યાદ અપાવે છે જે બંધારણની એકંદર લાવણ્યમાં ઉમેરો કરે છે. રાઉન્ડ પિલર ડિઝાઇન, ઘરો માટે રાઉન્ડ પિલર ડેકોરેશનના વિચારો પરંપરાગત આર્કિટેક્ચરલ ઘટકો છે. ઘરના આંતરિક ભાગની સુંદરતા વધારવા માટે સ્તંભોને વિવિધ પ્રકારની શૈલીઓ અને સામગ્રીમાં ડિઝાઇન કરી શકાય છે. તેઓ ન્યૂનતમ સરંજામ સાથે પણ સરસ રીતે જાય છે કારણ કે ત્યાં કોઈ ખર્ચાળ શણગાર નથી. જો કે, તેઓ રસપ્રદ કોતરણીથી શણગારવામાં આવી શકે છે. લાકડાના થાંભલાની ડિઝાઇન એક લાક્ષણિક દક્ષિણ ઘરની લાક્ષણિક ડિઝાઇન લાક્ષણિકતા લાકડાના થાંભલા છે. લાકડાના સુશોભિત થાંભલાઓ એક અલગ ડિઝાઇન ધરાવે છે પરંતુ તે લોડ બેરિંગ નથી. જો તમને આધાર માટે થાંભલાની જરૂર હોય તો એક આકર્ષક લાકડાની કોતરણીનો સ્તંભ તમારા ઘરમાં પરંપરાગત સ્પર્શ લાવશે. ટેરેસ પિલર ડિઝાઇન ટેરેસ થાંભલા ડિઝાઇન ઘટકો છે જે માળખાકીય સપોર્ટ પ્રદાન કરતી વખતે બાહ્ય વાતાવરણને દ્રશ્ય આકર્ષણ આપે છે. સ્તંભો વારંવાર કોંક્રિટ, પથ્થર અથવા ધાતુના બનેલા હોય છે. ટેરેસ થાંભલાઓ પણ બહારના વિસ્તારોમાં રસના આકર્ષક બિંદુઓ તરીકે કાર્ય કરે છે. વધુમાં, થાંભલાઓને લાઇટિંગ ફિક્સર અથવા ક્લાઇમ્બિંગ પ્લાન્ટ્સ રજૂ કરીને વધારી શકાય છે. ટાઇલ્ડ પિલર ડિઝાઇન છત ઉમેરીને બહારની જગ્યાના એક ભાગને વિસ્તારવા માટે ટાઇલ્ડ પિલર્સ ઉત્તમ પસંદગી છે. તમે ટાઇલ્સનો સમાવેશ કરીને રચનાઓમાં શૈલી, મૌલિકતા અને ટેક્સચરની ભાવના ઉમેરી શકો છો. ગ્રે ટાઇલ્સની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે જગ્યાને કુદરતી પાસું પ્રદાન કરે છે અને ઘરની સજાવટ સાથે મેચ કરી શકાય છે. બ્રિક પિલર ડિઝાઇન ખુલ્લા ખ્યાલવાળા ઘરમાં, ખુલ્લા ઈંટના થાંભલા ખૂબ સુંદર દેખાય છે. ઈંટના થાંભલા માળખાના વિશાળ ભારને ટેકો આપવા માટે અસરકારક છે. ફોક્સ ઈંટ પેનલ્સનો ઉપયોગ કરવો પણ શક્ય છે કારણ કે તે સ્થાપિત કરવા માટે સરળ છે. રસોડાના ટાપુના ખૂણે થોડો નાસ્તો નૂક અથવા ડેસ્ક તરીકે ખુલ્લી ઈંટનો થાંભલો અજાયબીઓનું કામ કરશે. કમાન સાથે પિલર ડિઝાઇન ઘરમાં કમાન બનાવતી વખતે, બે મજબૂત થાંભલા ઉપયોગી થઈ શકે છે. લિવિંગ રૂમ માટે ડિઝાઇન યોગ્ય છે. ફ્રન્ટ એલિવેશન માટે કમાન ડિઝાઇન સાથેનો થાંભલો લોડ બેરિંગ પિલરનો ઉપયોગ કરવાની સ્ટાઇલિશ રીત છે. એલિવેશનની બંને બાજુએ બે સ્તંભોને જોડતી કમાન ઓરડામાં નાટક ઉમેરે છે અને તમારા પગને જમીન પર રાખવા માટે દ્રશ્ય સંકેત તરીકે કામ કરે છે.